તણાવથી પોતાની જાતને દૂર રાખો, આનાથી તમે બહેતર રીતે નિર્ણય લઈ શકશો. કેટલાક સમયથી જે કાર્યોમાં વિઘ્ન અને અડચણો આવી રહી હતી, તે પણ કોઈના સહયોગથી સરળતાથી ઉકેલાઈ શકે છે. સમાજ અને સોસાયટીમાં તમારું માન-સન્માન બનેલું રહેશે. નેગેટિવ:- પોતાની બચતને વગર વિચાર્યે ખર્ચ ન કરો. ઘરના વરિષ્ઠ સભ્યો સાથે થોડો સમય પસાર કરવાથી પરસ્પર મતભેદો દૂર થશે. પોતાના સ્વભાવમાં ભાવુકતા અને કોમળતા જાળવી રાખો. ખૂબ વધુ પ્રેક્ટિકલ થઈ જવું પરસ્પર સંબંધોમાં અંતર પણ લાવી શકે છે. વ્યવસાય:- વ્યાવસાયિક ક્ષેત્રમાં પોતાની કાર્યપ્રણાલીમાં બદલાવ લાવો. આ સમયે ખૂબ વધુ પ્રતિસ્પર્ધાનો પણ સામનો કરવો પડશે. કર્મચારીઓની પ્રવૃત્તિઓની અવગણના ન કરો, કોઈ પ્રકારની ફૂટ પડી શકે છે. નોકરીની શોધ કરી રહેલા યુવાનોને આજે કોઈ ખુશખબર મળવાની છે. લવ:- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક તથા સહયોગાત્મક સંબંધો રહેશે. વિવાહ યોગ્ય લોકો માટે કોઈ સારો સંબંધ આવી શકે છે. સ્વાસ્થ્ય:- સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ પણ બનેલી રહેશે. રાહત મેળવવા માટે વ્યાયામ અવશ્ય કરો, સાથે જ ખાનપાનની રીત બદલવાની જરૂર છે. અનુભવી તથા સકારાત્મક પ્રવૃત્તિના લોકોના અનુભવો તમારા માટે સહાયક રહેશે તથા વિપરીત પરિસ્થિતિઓમાં સમાધાન શોધવાની પણ ક્ષમતા મળશે. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. સંતાનના ભવિષ્યને લઈને બનાવેલી યોજનાઓને સાકાર કરવા માટે કોઈ અનુભવીનું માર્ગદર્શન મળશે. નેગેટિવ:- પરંતુ રૂપિયા-પૈસાના લેણ-દેણ સંબંધિત બાબતોમાં કોઈના પર પણ વિશ્વાસ ન કરો. પાડોશ સાથે સંબંધિત મામલો ચાલી રહ્યો છે, તો તેમાં અત્યારે કોઈ પ્રકારનું સમાધાન મળવાની આશા નથી. અતિ આત્મવિશ્વાસ રાખવો પણ નુકસાનનું કારણ બને છે. વ્યવસાય:- પોતાના વ્યવસાય સંબંધિત કોઈ પણ પ્લાનને બીજા સાથે શેર ન કરો. સાથે જ પોતાની કાર્યપ્રણાલીમાં પણ પરિવર્તન સંબંધિત યોજનાઓ પર ફરી વિચાર-વિમર્શ કરો. આ સમયે ખૂબ વધુ મહેનત તથા ઓછા લાભ જેવી સ્થિતિ બની રહી છે. સરકારી કાર્યાલયમાં રાજનીતિ જેવું વાતાવરણ તમને પરેશાન કરી શકે છે. લવ:- ઘરમાં શાંતિપૂર્ણ વ્યવસ્થા રહેશે. પ્રેમ સંબંધોને વિવાહમાં પરિણમવા માટેની યોજનાઓમાં કંઈક અડચણો આવી શકે છે. સ્વાસ્થ્ય:- વધુ ભીડભાડ અને પોલ્યુશનવાળા સ્થળો પર જવાથી પરહેજ રાખો. ઈન્ફેક્શન વગેરેના કારણે સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. લકી કલર- બદામી, લકી નંબર- બે. પોઝિટિવ:- આજે ઘરમાં કોઈ ને કોઈ કાર્યને લઈને ચાલી રહેલી વ્યસ્તતા તમને થકવી દેશે, પરંતુ આ મહેનતનું પરિણામ મન મુજબ જ મળશે. કોઈ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ મળશે, પરસ્પર મુલાકાતથી બધાને ખુશી પણ મળશે. નેગેટિવ:- મનમાં નકારાત્મક વિચારોને સ્થાન ન આપો. આનાથી બચવા માટે પોતાની જાતને વ્યસ્ત રાખવી ખૂબ જરૂરી છે. ક્યારેક એવું લાગશે કે પરિસ્થિતિઓ હાથમાંથી નીકળતી જાય છે, જોકે ધૈર્ય અને સંયમથી તમે સમસ્યા પર